ઘણા સમય પહેલાની વાત છે. એક ગાઢ જંગલ હતું. તે જંગલમાં એક વિશાળ વડના ઝાડના થડમાં ઘણા બગલા રહેતા હતા. આ ઝાડ નદીના કિનારે આવેલું હતું, તેથી બગલાઓને ખોરાક અને પાણીની કોઈ અછત નહોતી. તેઓ પોતાના પરિવાર સાથે ખુશીથી રહેતા હતા. પરંતુ એક કાળો, ક્રૂર સાપ પણ તે જ વડના ઝાડના મૂળમાં તેના ખાડામાં રહેતો હતો. તે ખૂબ જ હોશિયાર અને હિંસક હતો. જ્યારે પણ બગલાઓના ઈંડામાંથી બાળકો જન્મતા, ત્યારે સાપ શાંતિથી ખાડામાંથી બહાર નીકળીને બગલાઓને ખાઈ જતો. આ દ્રશ્ય વારંવાર પુનરાવર્તિત થતું, જેના કારણે બગલા ખૂબ જ ઉદાસ અને પરેશાન થઈ જતા. આ વૃદ્ધ બગલામાંથી એક આ દુ:ખથી એટલો દુઃખી થઈ ગયો કે તેણે ખાવાનું બંધ કરી દીધું અને એક દિવસ નદી કિનારે ઉદાસ થઈને બેસી ગયો. તેની આંખોમાં આંસુ હતા અને તેનો ચહેરો ચિંતાથી ફિક્કો પડી ગયો હતો. તે જ સમયે, નજીકના પાણીમાંથી એક કરચલો બહાર આવ્યો. તેણે બગલાની આ હાલત જોઈ અને પૂછ્યું, કાકા! શું વાત છે? આજે તમે આટલા ઉદાસ કેમ છો? તમારી આંખોમાં આંસુ કેમ છે? બગલાએ કહ્યું, ભાઈ! દુઃખની વાત એ છે કે જ્યારે પણ મારા બાળકો જન્મે છે, ત્યારે આ દુષ્ટ સાપ તેમને ખાઈ જાય છે. હું ખૂબ જ પરેશાન છું. મને કોઈ ઉકેલ નથી આવતો. કૃપા કરીને મને એવી રીત જણાવો કે જેનાથી તે સાપનો નાશ થઈ શકે. કરચલો બાળપણથી જ બગલાથી હેરાન હતો. જ્યારે બગલો નાનો હતો, ત્યારે તે કરચલોનો શિકાર કરવાનો પ્રયાસ કરતો હતો. આજે તેને બદલો લેવાની તક મળી હતી. તેણે મનમાં વિચાર્યું – હું આ બગલાને એવો ઉપાય કહીશ જે ફક્ત સાપનો જ નાશ નહીં કરે, પણ આ બગલા અને તેના મિત્રોનો પણ નાશ કરશે. કરચલાએ કહ્યું, કાકા! જો તમારે સાપથી છુટકારો મેળવવો હોય, તો એક સરળ ઉપાય છે. નોળિયો સાપનો સૌથી મોટો દુશ્મન છે. તમે નોળિયાના છિદ્ર પાસે માંસના કેટલાક ટુકડા મૂકો અને પછી સાપના છિદ્ર સુધી માંસની એક હાર બનાવો. નોળિયા તે ટુકડા ખાતી વખતે સાપના છિદ્ર સુધી પહોંચશે અને ત્યાં સાપ જોતાં જ તે ચોક્કસ તેને મારી નાખશે. બગલાને આ ખૂબ ગમ્યું. તે દિવસે, યોજના મુજબ, તેણે પહેલા માંસના ટુકડા મોંગૂના છિદ્ર પાસે અને પછી સાપના છિદ્ર સુધી મૂક્યા. યોજના સંપૂર્ણપણે સફળ થઈ. નોળિયા માંસના ટુકડા ખાતી વખતે સાપના છિદ્ર સુધી પહોંચ્યો અને સાપને જોતાં જ તેણે તેની સાથે લડાઈ કરી અને તેને મારી નાખ્યો. બગલો ખૂબ ખુશ હતો કે હવે તેના બાળકો માટે કોઈ ખતરો